જો તમે પણ કામયાબ તથા સફળ થવા અને રૂપિયા કમાવવા ઇચ્છો છો તો તમને પણ લગન અને ઝનુનથી ઘણી મહેનત કરવી પડશે. તેની સાથે જ તમને સારી બાબતો અપનાવી પડશે. કારણ કે તમે કામયાબીના રસ્તા પર વધુ સારી રીતે આગળ વધી શકો. આ સાથે જ સફળતાના રસ્તામાં તમે પોતાને ખોટી આદતોથી બચવું પડે છે. કેટલીક ખોટી આદતો હોય છે, જેના કારણે તે વ્યકિતના રસ્તામાં રૂકાવટ કે સમસ્યાઓ આવી શકે છે. આ તે આદતો હોય છે જે તમને કયારેક સફળ નથી થવા દેતી અને તે તમારી પાસે પૈસા ટકવા દે છે. જો તમે આ કેટલીક ખરાબ આદતોને સમય પર નહીં છોડો તો કેટલી પણ મહેનત કેમ ન કરી લો, કયારેય પણ જીવનમાં ન તો કામયાબ થઇ શકો અને ન તો કયારેય રૂપિયા બનાવી શકશો. જો કયારેય કોઇ રીત રૂપિયા કમાઇ પણ લેશો તો આ આદતોના કારણે તેને તમારી પાસે રાખી નહીં શકો અને તેનો પુરો તથા સાચો સદપયોગ નહીં કરી શકો. દોસ્તો યાદ રાખો કે અમીર બનાવવા માટે માત્ર સખ્ત મહેનત અને બચતથી જ કામ નથી ચાલતું. આ માટે તમારે કેટલીક ખરાબ આદતોથી બચવુ પડશે. હંમેશા મોંઘી ચીજોનો ઉપયોગ કરવો:જો તમારી કમાણી સતત વધી રહી છે તો તમારે તમારા ખર્ચ વધારવા ન જોઇએ. જો તમે તમારી કમાણી અને ક્ષમતા-સામર્થ્યથી અધિક ખર્ચ કરશો કે તમારા સામર્થ્યથી વધુ મોંઘી વસ્તુ ખરીદશો તો તમે જીવનમાં કયારેય પણ અમીર નહીં બની શકો. તમારા પોતાના ખુન-પસીનાની કમાણીનું મહત્વ સમજવું જોઇએ અને કયારેય પણ વ્યર્થ ન કરવું જોઇએ. સમજદારી એવામાં જ હોય છે કે પોતાની ક્ષમતા-સામર્થ્ય અને કમાણી અનુસાર જ પોતાના ખર્ચ રાખો. સ્માર્ટ વર્ક ન કરવું: જો કોઇ વ્યકિત માત્ર સખ્ત મહેનત કરી રહયો છે તો પણ કયારેય અમીર નહીં બની શકે, કેમ કે આવી રીતે તે પૈસા કમાઇ માત્ર પોતાનું જીવન વીતાવી શકે છે, જીવનમાં કયારેય પણ રૂપિયા બચાવી શકતા નથી. દોસ્તો જો તમે તમારા જીવનમાં ખરેખર રૂપિયા કમાવા છે અને અમીર બનવું છે તો તમારા જીવનમાં હંમેશા સખ્ત મહેનતથી સાથે હંમેશા સ્માર્ટ વર્ક પણ કરવું પડશે. સ્માર્ટ વર્કની મદદથી તમે માત્ર રૂપિયા જ નહીં કમાઇ શકો, પરંતુ રૂપિયાની બચત પણ કરી શકશો અને રૂપિયાનો સાચી જગ્યાએ ઉપયોગ પણ ઉપયોગ કરી શકશો. મહેનતની કમાણી કરીને જીવનમાં પૈસાની બચતને સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને તે વ્યકિત અમીર બની શકે છે. કંફર્ટ ઝોનથી બહાર આવવું: જીવનમાં ઘણા લોકો કયારેક રીસ્ક લઇને કંઇક નવું કરવાની કોશિષ નથી કરતા.